એક સિંહ જંગલમાં સૂતો હતો,ત્યારે મનોરંજન માટે એક ઉંદર તેના શરીર ઉપર અને નીચે ચાલવા લાગ્યો. એણે સિંહની ઊંઘમાં ખલેલ પહોંચાડી, અને સિંહ ખૂબ ગુસ્સે થી જાગી ગયો. તે ઉંદર ને ખાવા જતો હતો, ત્યારે ઉંદરે સિંહને તેને મુક્ત કરવાની વિનંતી કરી "હું તમને વચન આપું છું, જો તમે મને છોડી દેશો, તો કોઈક દિવસ હું તમને ખૂબ મદદ કરીશ. " સિંહ ઉંદર ના આત્મવિશ્વાસથી હસ્યો અને તેને જવા દીધો. એક દિવસ, થોડા શિકારી ઓ જંગલમાં આવ્યા અને સિંહ ને પોતાની સાથે લઈ ગયા. તેઓએ તેને એક ઝાડની સાથે બાંધી દીધો. સિંહ બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને ધૂમ મચાવવા લાગ્યો હતો. ટૂંક સમયમાં, ઉંદર ત્યાંથી પસાર થયો,અને સિંહને મુશ્કેલીમાં જોયો. ઝડપથી, તે દોડીને સિંહને મુક્ત કરવા દોરડા પર પોતાના દાંત થી કાપી નાખ્યા. અને પછી બને એ દોડીને જંગલમાં પ્રવેશ કર્યો. એકવાર, એક શ્રીમંત વેપારી બીરબલની મદદ લેવા રાજા અકબરના દરબારમાં આવ્યા. તેને શંકા છે કે તેના એક સેવકે તેની પાસેથી લૂંટ કરી છે. આ સાંભળીને બીરબલે ચતુર યોજના નો વિચાર કર્યો અને વેપારી ના સેવકોને બોલાવ્યા. તેણે દરેક સેવ સેવકને સમાન લંબાઈ ની લાકડી આપી. તેણે તેમને કહ્યું કે બીજા દિવસે ચોરની લાકડી બે ઇંચ વધશે. બીજે દિવસે બીરબલે સેવકોને ફરીથી બોલાવ્યા. તેણે જોયું કે એક નોકર ની લાકડી બીજા કરતા બે ઇંચ ટૂંકી હતી. તે જાણતો હતો કે ચોર કોણ છે. મૂર્ખ ચોર બે ઇંચ નો વધારો થવાનો વિચાર કરતાં તેણે લાકડી ટૂંકી કાપી નાખી હતી. આમ, કરીને પોતાનો દોષ સાબિત કરે છે. એકવાર સર્કસમાં, પાંચ હાથી સર્કસ ના ખેલ બતાવતા હતા. તેઓ ને એક સાવ નબળા દોરડા સાથે બાંધી દેવામાં આવ્યા હતા,અને એ દોરડા એવા હતા કે તેઓ સરળતાથી ભાગી શકે છે, પરંતુ દોરડા તોડીને ભાગ્યા ન હતા. એક દિવસ, સર્કસ પર જઈ રહેલા એક વ્યક્તિ એ રિંગમાસ્ટરને પૂછ્યું: "આ હાથી ઓ સાવ નબળા દોરડા સાથે બાંધેલા છે,છતાં તે દોરડું તોડી ને કેમ ભાગતા નથી? " રીંગ માસ્ટર એ જવાબ આપ્યો: "જ્યારે તેઓ નાના હતા, ત્યારે અમે તેને એક મજબૂત દોરડા થી બાંધતા હતા,કારણ કે નાના હોવાને કારણે તેમાં દોરડા તોડવાનું નું બળ ન હતું,આને કારણે એના મનમાં એ વાત બેસી ગઈ કે તેનાથી દોરડું ના તૂટે,તેથી મોટા થયા બાદ પણ તેઓ કદી પણ દોરડું તોડવાનો પ્રયત્ન કરતા નથી. "આ તે માન્યતાને કારણે હતું કે તેણે દોરડાઓ તોડવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.